ભારતીયો માટે આધુનિક કપડા ડિઝાઇન ટિપ્સ. અમે તમને તમારી સ્ટોરેજ સ્પેસને આધુનિક કપડા ડિઝાઇનમાં રૂપાંતરિત કરવા માટે શ્રેષ્ઠ ટિપ્સ આપીએ છીએ, જે બધાની ઈર્ષ્યા હશે. તમે કઈ વસ્તુઓ કરી શકો છો તેના પર એક નજર નાખો અને તમારા બજેટ અને શૈલી અનુસાર પસંદ કરો. સૌંદર્યલક્ષી અને ગરમ ટોન રંગ પસંદ કરો. યોગ્ય રંગ પસંદ કરવો, જે તમારા રૂમને પૂરક બનાવે, તે શ્રેષ્ઠ વસ્તુ છે જે તમે કરી શકો. તે તમારા કપડાને તમારી જગ્યા સાથે સમન્વયિત કરશે અને તમારા રૂમ માટે માટીની આભા બનાવશે. કેટલાક લોકો તેમની જગ્યા માટે વાસ્તુ-મંજૂર રંગો પણ પસંદ કરે છે. ગરમ ટોન ધરાવતા કપડા. તમારા કપડાના દરવાજામાં અરીસો ઉમેરો. ભારતમાં, મોટાભાગના ઘરોમાં ફક્ત તેમના બેડરૂમમાં કપડાંની ડિઝાઇન કરવામાં આવી છે. તેથી, તમે તે ડિઝાઇનનો ઉપયોગ કાર્યાત્મક હેતુ માટે કરી શકો છો અને તેને સ્ટાઇલિશ પણ બનાવી શકો છો. અરીસાઓનો ઉપયોગ કરવો સારું છે. પછી ભલે તે સ્લાઇડિંગ ડોર હોય કે તમારા કપડાનો સામાન્ય ખુલ્લો-બંધ દરવાજો, તમે તેની સાથે મોટા અરીસાઓ જોડી શકો છો. મિરર દરવાજા સાથે કપડા. સ્લાઇડિંગ દરવાજા પસંદ કરો. જો તમે ઇચ્છો છો કે તમારા કપડા ખોલતી વખતે ઓછી જગ્યા લે, તો તમારા માટે સ્લાઇડિંગ ડોર શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ ભારતીય ઘરો માટે ખૂબ જગ્યા-કાર્યક્ષમ છે. કપડાની ડિઝાઇન હાલના સમયમાં ખૂબ લોકપ્રિય છે, અને તમારી પાસે નાનો રૂમ હોય કે મોટો, તે ચોક્કસ સ્ટાઇલિશ લાગશે. સ્લાઇડિંગ દરવાજા સાથે કપડા. તમારા સ્ટુડિયો અથવા એપાર્ટમેન્ટને બજેટમાં સજાવવાની સ્માર્ટ રીતો. ફોલ્સ સિલિંગ લાઇટ્સ પસંદ કરવા માટેની ટિપ્સ. સરળ ઘર સજાવટના વિચારો. વોલ ટાઇલ ડિઝાઇન આઇડિયાઝ. અનન્ય દેખાવ માટે, છબીઓ સાથે ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ ડિઝાઇન વિચારો. સ્ટાઇલિશ ઘર માટે વિવિધ પ્રકારના ડાઇનિંગ ટેબલ. તમારા ઘર માટે આયર્ન અલ્મિરાહ ડિઝાઇન વિચારો. ઘરના પરંપરાગત દેખાવ માટે લાકડાના મુખ્ય દરવાજાની ડિઝાઇન. તમારી રાશિ પ્રમાણે તમારી આંતરિક ડિઝાઇનની શૈલી જાણો. સિંગલ પર બહુવિધ એકમોનો વિચાર કરો. જો તમે એવા વ્યક્તિ છો કે જે તમારા કપડાનો ઉપયોગ તમામ પ્રકારની વસ્તુઓ સ્ટોર કરવા માટે કરે છે, તો તમારા માટે બહુવિધ એકમો રાખવાનું શ્રેષ્ઠ છે. તે તમને વિવિધ ઉત્પાદનો માટે જગ્યા આપે છે અને દરેક વસ્તુને વધુ વ્યવસ્થિત બનાવે છે. તમારી વસ્તુઓને અન્ય કોઈ જગ્યાએ સ્ટોર કરવા માટે તમારે બિનજરૂરી વધારાની જગ્યાની જરૂર પડશે નહીં. બહુવિધ એકમો સમાવતી કપડા. લેમિનેટેડ શીટ્સ એક ચમત્કારની જેમ કામ કરે છે. તે કંઈક બજેટ-ફ્રેન્ડલી હોવા છતાં સર્વોપરી છે. જો તમને લાકડાની સરસ ફિનિશ જોઈતી હોય, ભલે તે લાકડાની ન હોય, લેમિનેશન શીટ્સ તમારી વસ્તુ છે. તેઓ એવો સરળ દેખાવ આપે છે અને નકલી લાગતા નથી.